યુએસ દસ-વર્ષના બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે, વધુ વિઝિબિલિટી મેળવવા માટે બજાર યુએસ વ્યાજ દરોના માર્ગની રાહ જોઈ રહ્યું છે. " શાનદાર સફળતાને પગલે, કેન્દ્રએ શુક્રવારે વધારાના એક પોઈંટ પાંચ ટકા ઇક્વિટીનું વેચાણ કરીને ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. કોલ ઈન્ડિયાએ ગઈ કાલે ચાર પોઈંટ બેતાલીસ ટકા ઘટીને રૂપિયા બસોત્રીસ પોઈંટ પંચાવન પર વેપાર સેટલ કર્યો હતો. લોન-ક્રેડિટ કાર્ડ જેવા દેવાથી બચવાના ઉપાયો; બજેટ બનાવી ક્ષમતા અનુસાર ખર્ચ કરો અને ચિંતામુક્ત રહો. આદિત્ય બિરલા કેપિટલના બોર્ડે તેના પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ એન્ટિટીને રૂપિયા બારસો પચાસ કરોડના પ્રેફરન્શિયલ ઇશ્યુને મંજૂરી આપી હતી. આદિત્ય બિરલા ગ્રૂપની ફ્લેગશિપ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા એક હજાર કરોડનું રોકાણ કરશે, જ્યારે અન્ય જૂથ એન્ટિટી, સૂર્ય કિરણ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રેફરન્શિયલ ઇશ્યૂમાં રૂપિયા બસો પચાસ કરોડનું રોકાણ કરશે. એ મે મહિનામાં વિક્રમી ઉત્પાદન નોંધાવ્યું છે, જે દર વર્ષે ત્રેતાલીસ ટકા ની વૃદ્ધિ છે. કંપનીએ મે બે હજાર ત્રેવીસમાં એક પોઈંટ ત્રેપન લાખ ટન મેંગેનીઝ ઓરનું ઉત્પાદન કર્યું હતું. અદાણી એન્ટરપ્રાઈઝની પેટાકંપની, અદાણી રોડ ટ્રાન્સપોર્ટે સ્વર્ણ ટોલવે પ્રાઈવેટમાં સો ટકા હિસ્સો અને ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં છપ્પન પોઈંટ આઠ ટકા હિસ્સો ખરીદવા માટે ઈન્વેસ્ટમેન્ટ્સ સાથેનો તેનો કરાર સમાપ્ત કર્યો હતો. ગેઇલ લિમિટેડે પેટ્રોકેમિકલ્સમાં રૂપિયા બે હજાર એકસો એક કરોડનું રોકાણ કર્યું હતું, જેમાં ઇક્વિટી હિસ્સો રૂપિયા છસો પચ્ચીસ કરોડ હતો અને દેવાનો હિસ્સો રૂપિયા એક હજાર ચારસો છોતેર કરોડ હતો, કુલ રિઝોલ્યુશન પ્લાન તરફ. એ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગઈ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય એ રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ, જેમાં વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાઓનો સમાવેશ થાય છે, તેની કેટલીક અન્ય યોજનાઓના પ્રચાર માટે ભંડોળ ડાયવર્ટ કર્યું છે, એમ ભારતના નિયંત્રક અને મહાલેખક જનરલ એ જણાવ્યું છે. અઢાર થી એકવીસ સુધીના પ્રદર્શન ઓડિટ પર રિપોર્ટ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે "રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને હેઠળની ફાળવણી ની વિવિધ પેટા યોજનાઓ હેઠળ પેન્શનના વિતરણ માટે માહી હતી.